લેટેક્સ ફુગ્ગાઓ જન્મદિવસના ફુગ્ગાઓની સૌથી વધુ પોકેટ-ફ્રેંડલી વિવિધતા પણ છે કારણ કે ખૂબવાજબી કિંમતે બલ્કમાં પૂરતી મોટી રકમ ખરીદી શકાય છે. જો કે, જન્મદિવસના બ્લુન બલૂનની સજાવટના અન્ય કેટલાક પ્રકારોથી વિપરીત, લેટેક્સ બહુ લાંબો સમય ટકી શકતો નથી અને બેથી ત્રણ દિવસમાં ડિફ્લેટ થવા લાગે છે, તેથી તેને ફરીથી વાપરી શકાય તેમ નથી. તેમ છતાં, લેટેક્સ ફુગ્ગા જન્મદિવસો અને અન્ય સુશોભન હેતુઓ માટે ફુગ્ગાઓની સૌથી લોકપ્રિય પસંદગી તરીકે રહે છે. લેટેક્સ બલૂન વડે તમારા જન્મદિવસના બલૂન ડેકોરેશનમાં ઘન ધન રંગોનો ઉમેરો કરોબર્થડે બલૂન ડેકોરેશન માટે ફાઇલ ફુગ્ગાફુગ્ગાઓ છે જે એલ્યુમિનિયમ વરખથી બનેલા છે અને બાહ્ય સપાટીથી સપાટીની પાછળની બાજુએ નાયલોનની એક પડ ધરાવે છે. ફોઇલ ફુગ્ગામાં સામાન્ય રીતે ચળકતી, ધાતુની રચના હોય છે અને તે સામાન્ય ગોળાકાર, અંડાશય અને રદયની ડિઝાઇન સિવાય વિવિધ આકારોમાં આવે છે. વાસ્તવમાં, તેમના લવચીક સ્વભાવને જોતાં,પ્રકારના ફુગ્ગાઓ મનપસંદ કાર્ટૂન કેરેક્ટર જેવા કોઈ પણ વ્યક્તિની પસંદગીના ઑબ્જેક્ટને મળતા આવે તે માટે કસ્ટમાઇઝ કરી શકાય છે. તેમાંના નાયલોન કોટિંગને જોતાં, ગેસમાંથી બચવાનો થોડો અવકાશ છે, લેટેક્સ બર્થડે બલૂનની સજાવટ કરતો વધુ લં લાંબો સમય ચાલે છે. લેટેક્સ ફુગ્ગાઓથી વિપરીત, ફોઇલ ફરીથી વાપરી શકાય તેવા હોય છે અને તે સમાપ્ત થયા પછી ફરીથી ગેસથી ભરાઈ શકે છે. જો કે,પ્રકારના બર્થડે ફુગ્ગા અન્ય બર્થડે ફુગ્ગાઓ કરતાં નોંધપાત્ર રીતે વધુ મોંઘા હોય છે, કારણ કે એક પીસ લગભગ રુપીયા માં વેચી શકાય છે. પરંતુ જો તમારા જન્મદિવસની પાર્ટી માટે બજેટ મોટો અવરોધ નથી, તો હંમેશા ફાઇલ બર્થડે બલૂન ડેકોરેશન સાથે આગળ વધવાની સલાહ આપવામાં આવે છે. અન્ય કોઈ પ્રકારનો બલૂન તમને વિશાળ વિકલ્પોનો સમૂહ આપશે નહીં. વરખના જન્મદિવસના ફુગ્ગાઓ સાથે વિવિધ મનોરંજક આકારોનો સંગ્રહ. બર્થડે બલૂન ડેકોરેશન માટે બબલ ફુગ્ગાપ્રકારના ફુગ્ગાઓને તેમના સ્પષ્ટ, પારદર્શક અને સંપૂર્ણ ગોળાકાર દેખાવને ધ્યાનમાં રાખીને નામ આપવામાં આવ્યું છે. તે સિલિકોન અથવા સ્પષ્ટ પીવીસીના બનેલા હોઈ શકે છે અને તે અત્યાર સુધીના સૌથી ટકાઉ પ્રકાર છે. ફુગ્ગાઓ લેટેક્સ જેટલા સસ્તા નથી,તો તે ફાઈ ફોઈલ બલૂન જેવા ઊંચા ભાવે આવતા નથીતેમના દરો લગભગ રૂપિયા ની આરામદાયક મધ્ય રેન્જમાં છે. પ્રતિ નંગ. બબલ બલૂન્સે તાજેતરમાં જન્મદિવસના બલૂન ડેકોરેશનની શોધ કરતા લોકોમાં નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી છે કારણ કે ગ્લાસી બાહ્ય સુશોભનમાં ઘણા સર્જનાત્મક લેઆઉટને અમલમાં મૂકવાનો અવકાશ પૂરો પાડે છે. જન્મદિવસની પાર્ટી માટેપ્રકારના બલૂનને ગોઠવવાની કેટલીક રીતો લેખમાં પછીથી ચર્ચા માં કરવામાં આવી છે. પારદર્શક બબલ ફુગ્ગાઓના સંગ્રહ સાથે જન્મદિવસ માટે તમારા બલૂન ડેકોરેશનમાં અભિજાત્યપણુ ઉમેરો શ્રેષ્ઠ સામાન્ય હાઉસ ફ્રન્ટ એલિવેશન ડિઝાઇન્રસ હાઉસ ફ્રન્ટ એલિવેશન ડિઝાઇન્સ, ડેકોરેટિવ વોલ મિરર ડિઝાઇન્સ